ફિલ્મનું એડવાન્સ બુકિંગ તોફાની ગતિએ થઇ રહ્યું છે. શાહરૂખ પઠાણથી ચાર વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર કમબેક કરી રહ્યો છે. એસ આર કેના ચાહકો તેને પડદા પર જોવા માટે ઉત્સુક છે. આવી સ્થિતિમાં તેના ચાહકો કિંગ ઓફ રોમાન્સ શાહરૂખને પડદા પર જોવા માટે કોઈ કસર છોડી રહ્યા નથી. આટલી મોંઘી વેચાઈ રહી છે ટિકિટો શાહરૂખના ચાહકોના ક્રેઝનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે કિંગ ખાનના ફેન્સ જોવા માટે ટિકિટ ખરીદવા માટે હજારો રૂપિયા ખર્ચી રહ્યા છે.વીસ જાન્યુઆરીએ પઠાણનું એડવાન્સ બુકિંગ શરૂ થયું ત્યારથી જ ફિલ્મની ટિકિટની કિંમતો આસમાને પહોંચી ગઈ છે. પરંતુ કિંગ ખાનના ચાહકો તેને સ્ક્રીન પર જોવા માટે સૌથી મોંઘી ટિકિટો ખરીદવા પીછડ નથી હટી રહ્યા. ટિકિટ આટલી મોંઘી હોવા છતાં મોલના દરેક શો ફુલ થઈ ગયા છે. આ બધું જોતા લાગી રહ્યું છે કે, આપણે એ વાત સાથે સહમત થવું પડશે કે ચાહકો શાહરૂખને ખુબ પ્રેમ કરે છે. આ કારણે જ પઠાણને લઈને ચાલી રહેલા વિવાદની વચ્ચે પણ ચાહકો પર કોઈ અસર પડી નથી. ચાહકો તેમના કિંગને મોટા પડદા પર જોવા માટે ખુબ જ આતુર છે. દિલ્હીમાં પણ ટિકિટના ઊંચા ભાવ! પણ મોંઘી ટિકિટો હોવા છતાં કિંગખાનની પઠાણની એડવાન્સ બુકિંગે દરેક રેકોર્ડ તોડી નાખ્યા છે. 'પઠાણ'ના હિન્દી અને તેલુગુ વર્ઝનની ટિકિટ સૌથી વધુ વેચાઈ છે. પચીસ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં શાહરૂખ ખાનનો સૌથી અલગ અવતાર જોવા મળશે. શાહરુખે પઠાણ માટે પોતાની બોડી પર ઘણી મહેનત કરી છે. શાહરૂખ પઠાણ ફિલ્મમાં દીપિકા પાદુકોણ સાથે રોમાન્સ કરતો જોવા મળશે. જોન અબ્રાહમ પણ લીડ રોલમાં જોવા મળશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે રિલીઝ બાદ પઠાણ કેટલા રેકોર્ડ તોડે છે. પહેલા વિકેન્ડમાં કેટલી કમાણી કરશે? અનેક રેકોર્ડ તોડી કમાશે અધધ આટલા કરોડ: શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ' ની રાહ ચાહકો આતુરતાથી જોઈ રહ્યા છે.